કોરોનાની સારવારમાં આમઆદમીને જરાય તકલીફ પડે નહીં તે માટે રૂપાણી સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું કોવિડના અતિભારે સંક્રમણના કારણોની તપાસ માટે સુરત આવેલી એઈમ્સની ટુકડી એ ટેસ્ટિંગ ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટનો વ્યાપ વધારવા ઉપર ભાર મૂક્યો જી કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં આજે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ ગઈ દીવ ટાપુ ઉપર આવેલા સાઉદવાડી ગ્રામ પંચાયત દ્વાતા કોરોના રસીકરણ કેન્દ્ર ખોલવામાં આવતા જાગૃત નાગરિકો રસી લેવા માટે ત્યાં એકઠા થઈ રહ્યા છે કોરોના સારવાર માટે અનિવાર્ય એવા ઈંજેકશન અને દવાની કૃતિમ અછત સર્જાય નહીં તેની કાળજી લેવાની સૂચના તંત્રને અપાઈ હોવાનું તેમણે કહ્યું હતું એંસી લાખ બેતાલીસ હજાર એકવીસ સાત દરમિયાન વધતાં કોવિડ સંક્રમણને ધ્યાને લેતા માહિતી નિયામક કચેરીની વર્ગ એક બે અને ત્રણ ની ભરતી માટે દસ મી એપ્રિલે યોજનારી પ્રિલિમિનરી પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે શૂન્ય પાંચ કોરોના ગુજરાતની હાલત એક કોરોનાથી લોકોનું રક્ષણ કરવા માટે રૂપાણી સરકાર પૂરતું મેડિકલ માળખું ગોઠવી રહી છે પરંતુ સંક્રમણમાં રોજ નોંધાતો નવો વધારો પડકાર સાબિત થતો જાય છે શૂન્ય દસ જી પી એસ સી પરીક્ષા ગુજરાત જાહેર સેવા આયોગ જી પી એસ સી એ એપ્રિલ માહિનામાં યોજનારી બધી પ્રિલિમિનરી પરીક્ષાઑ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે આ પરિક્ષાની નવી તારીખ ઓજસ તથા આ ઉપરાંત રાજયના ખાનગી નર્સીગ હોમને કોરોનાના પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપવા સૂચનાઓ અપાઈ છે મોરબીના પ્રભારી સચિવ મનીષા ચંદ્રાએ આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના વોર્ડમાં ઉપલબ્ધ સગવડની સમિક્ષા કરી હતી મહેસાણા નગરપાલિકા એ ગટર પાણી અને સફાઈની ફરિયાદ ટેલિફોન હેલ્પ એક લાઈન શરૂ કરી છે જેથી નાગરિકોને ઘર બહાર નીકળ્યા વગર સેવા મળી રહે આણંદના સરકારી દવાખાના ઉપર કોરોના દર્દીનું ભારણ ઘટાડવા માટે વાસદમાં સત્તાવીસ પથારીનું કોવિડ સારવાર કેન્દ્ર આજથી શરૂ કરવામાં આવ્યું છે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં એક સાથે દસ કર્મચારી કોરોના પોઝિટીવ આવતા કચેરી બંધ કરવામાં આવી છે શૂન્ય આઠ સુરત ધારાસભ્ય હોસ્પિટલ ઊભી કરી સુરતની મજુરા બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવી એ માત્ર અડતાલીસ કલાકમાં એક સો બેડની કોવિડ હોસ્પિટલ પોતાના મિત્રો અને સહયોગીના સહકારથી શરૂ કરી દાખલો બેસાડયો છે છોટા ઉદેપુર પંથક ના જેતપુર પાવીમાં વીસ હજાર માસ્કનું જાહેર વિતરણ ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને ખુદ સરપંચ મોટુ શાહ બજારમાં દુકાને દુકાને ફરી માસ્ક બધાને આપતા જોવાયા હતા સિવિલ મેડિસીટીમાં આવેલી વિવિધ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે પથારીની સંખ્યા વધારવામાં આવી છે રોગચાળા વૈજ્ઞાનિક અને ડોક્ટરની બનેલી આ ટીમ સાથે પરામર્શ થયા બાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું કે કેસ વધવાની ઝડપ સૌને માટે મોટી ચિંતાનો વિષય છે શ્રી પટેલે ઉમેર્યું હતું કે કેન્દ્રિય ટીમનો ઝોક ટેસ્ટિંગ ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટનો વ્યાપ વધારવા ઉપર હતો પાંત્રીસ ચૂંટણી જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને વધુ બેઠક મળી છે।